અંતમાં પ્રિન્સિપાલ નાગેન્દ્ર પાંડેજઈએ ખાસ કરીને આગામી ફેબ્રુઆરીમાર્ચમા સીબીએસસી અભ્યાસક્રમમાં ભણતા બાળકો માટે સ્કૂલની પસંદગી કરવાની હોય તે પૂર્વે મોરબીના સ્માર્ટ વાલીઓએ કમસેકમ એક વખત પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક વખત દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની મુલાકાત લેવાની સાથે સફળતા પૂર્વક છેલ્લા એક વર્ષથી અહીં અભ્યાસ કરતા બાળકો અને વાલીઓના પ્રતિભાવ જાણી હાઇક્વોલિટી એજ્યુકેશન માટે નિર્ણય લેવા તમામ વાલીઓને અનુરોધ કર્યો છે. મોરબીના શિક્ષકોએ તૈયાર કરેલા પ્રયોગોએ રાજયકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં ધૂમ મચાવી જિલ્લાના પાંચ શિક્ષકોએ આણંદ ખાતે રજૂ કરેલા પ્રયોગો નિહાળી શિક્ષણમંત્રી તેમજ શિક્ષણસચિવ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અભિભૂત થયા મોરબી મોરબી જીલ્લામાં આયોજિત ઇનોવેશન ફેસ્ટીવલમાંથીઇનોવેશનની રાજ્ય કક્ષાએ પસંદગી થઇ હતી. શિક્ષકોએ આણંદ ખાતે ચારુસેટ યુનિવર્સીટીમાં યોજાયેલા ચોથા ઇનોવેશન ફેસ્ટીવલમાં મોરબી જીલ્લાનું નામ રોશન કર્યું હતું. શિક્ષકોએ તૈયાર કરેલાનવીન પ્રયોગો નિહાળીને સૌ કોઈ અભિભૂત થયા હતા. મોરબી જીલ્લાના ડી આઈ સી કો-ઓર્ડીનેટર મીનાક્ષીબેન રાવલ તથા ડાયેટ પ્રાચાર્ય ચેતનાબેન વ્યાસ દ્વારા દરેક શાળા મુલાકાત દરમિયાન ઇનોવેટીવ શિક્ષકોને પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવે છે. બાદમાં તેઓ માટે દર વર્ષે જીલ્લા કક્ષાએ ઇનોવેશન ફેસ્ટિવલનો કાર્યક્રમ યોજાય છે. બાદમાં મોરબી જીલ્લાની દરેક શાળાના શિક્ષકો તેની મુલાકાત લે છે. ફેસ્ટીવલમાંથીવર્ષે ચાર ઇનોવેશનની પસંદગી, કોર કમિટી અને મુલાકાતી શિક્ષકોના ગુણાંકનને આધારે કરવામાં આવેલી હતી. જેમાં વાંકાનેરના રાતીદેવળી કન્યા શાળાના શિક્ષિકા ડૉ. પાયલ ભટ્ટની કૃતિ ભાષા સંગમએક ઉત્સવ, ટંકારાના નેકનામ કન્યા શાળાના સુષ્માબેન પડયાની કૃતિ 'સુષ્મા'ઝ સંકલ્પ' અને વાંકાનેરના ભેરડાના અમિત દેથારિયાની કૃતિ 'ગણિતનો જાદુ' પ્રાથમિક વિભાગમાંથી પસંદગી પામી હતી. માધ્યમિક વિભાગમાં વી. સી. હાઇસ્કુલના અમિત તન્નાની કૃતિ બોટનીકલ ક્લાસરૂમને રાજય કક્ષાએ મોકલવામાં આવી હતી. ઉપરાંત નવા મકનસર શાળાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા જીતેન્દ્ર પાંચોટિયાને રાજ્યના ઇનોવેશન ફેસ્ટીવલમાં પોતાનું ઇનોવેશન રજુ કરવા વિશેષ આમંત્રણ આપવામાં આવેલું હતું.